પરંતુ મને લાગે છે કે તેનું એક કારણ છે કે આપણે આપણી સમજણ બદલવી પડશે કે હતાશા અને ચિંતા ખરેખર શું છે. પરંતુ જો આપણે જીવ વિજ્ઞાનને મંજૂરી આપીએ સંપૂર્ણ ચિત્ર બનવા માટે, જેમ કે મેં આટલા લાંબા સમય સુધી કર્યું, જેમ કે હું દલીલ કરું કે આપણી સંસ્કૃતિએ ઘણું સારું કર્યું છે મારા જીવનમાં. અમે લોકોને સ્પષ્ટપણે શું કહી રહ્યા છીએ છે અને આ કોઈનો હેતુ નથી, પરંતુ આપને અંદરથી લોકોને શું કહી રહ્યા છીએ, "તમારી પીડા નો અર્થ કંઈ નથી. તે માત્ર એક ખામી છે. તે કમ્પ્યુટર પ્રોગ્રામમાં ભૂલ જેવી છે, તે તમારા માથામાં વાયરિંગની સમસ્યા છે." પરંતુ હું જ માત્ર મારું જીવન બદલીને શરૂ કરવા સક્ષમ હતો જ્યારે મને સમજાયું તમારી હતાશા એ કોઈ ખામી નથી. તે સંકેત છે. તમારી ઉદાસીનતા એ સંકેત છે. તે તમને કંઈક કહે છે. આપણે આ કારણોસર અનુભવીએ છીએ, અને તેઓ હતાશાના ગળામાં જોવા મુશ્કેલ હોઈ શકે છે. હું તે ખરેખર સારી રીતે સમજું છું વ્યક્તિગત અનુભવ માંથી. પરંતુ યોગ્ય સહાયથી આપણે આ સમસ્યાઓ સમજી શકીએ છીએ અને આપણે આ સમસ્યાઓ સાથે મળીને ઠીક કરી શકીએ છીએ. પરંતુ તે કરવા માટે ખૂબ જ પ્રથમ પગલું આપણે આ સંકેતોનું અપમાન કરવાનું બંધ કરવું પડશે એમ કહીને કે તેઓ નબળાઇની નિશાની છે અથવા ગાંડપણ અથવા સંપૂર્ણ જૈવિક. આપણે પ્રારંભ કરવાની જરૂર છે આ સંકેતો સાંભળીને કારણ કે તેઓ આપણને જણાવી રહ્યાં છે કંઈક જે આપણે ખરેખર સાંભળવાની જરૂર છે. તે ત્યારે જ છે જ્યારે આપણે ખરા અર્થમાં આ સંકેતો સાંભળો, અને આપણે આ સંકેતોનું સન્માન કરીએ છીએ અને આ સંકેતોનો આદર કરો, કે આપણે જોવાનું શરૂ કરીશું. આભાર. હું એક એસ્ટ્રોફિઝિસ્ટ છું. હું સમગ્ર બ્રહ્માંડમાં તારાઓની વિસ્ફોટોનું સંશોધન કરું છું. પરંતુ મારી પાસે એક ખામી છે. હું બેચેન છું, અને હું સરળતાથી કંટાળી ગયો છું. અને એસ્ટ્રોફિઝિસ્ટ હોવા છતાં મારી પાસે અતુલ્ય તક છે સમગ્ર બ્રહ્માંડનો અભ્યાસ કરવા માટે. ફક્ત તે જ કરવાનું વિચાર્યું. હંમેશાં તે મને પાંજરામાં અને મર્યાદિત બનાવી દે છે. જો ધ્યાન રાખવામાં અને કંટાળો આવે ત્યારે મારા મુદ્દાઓ શું છે જ્યાં દોષ નથી, છતાં? જો હું તેમને કોઈ સંપત્તિમાં ફેરવી શકું? કોઈ એસ્ટ્રોફિઝિસ્ટ તેની સાથે સંપર્ક કરી શકતો નથી તે જે વસ્તુઓનો અભ્યાસ કરે છે.